પ્રોપર્ટી પરના પૂલ હાઉસમાં એક વધારાનું આલીશાન રસોડું પણ મળી શકે છે. તેમાં કસ્ટમ-બિલ્ટ બરબેકયુ સુવિધાઓ છે. સેલિન ડીયોન હાઉસ પ્રવેશ વિસ્તાર. એસ્ટેટનો બીચ કબાના અને એન્ટ્રી પેવેલિયન અષ્ટકોણ આકારના છે. તે ડીયોન માટે ડિઝાઇનનો નોંધપાત્ર ઘટક હતો, કારણ કે તે તેના ઘરમાં નિખાલસતાની લાગણી ઇચ્છે છે. સેલિન ડીયોન બેડરૂમ ઇન્ટિરિયર્સ. ફ્લોરિડામાં સેલિન ડીયોન હાઉસમાં એક જાજરમાન બેડરૂમ. ભલે તે કોઈ પણ રીતે બહામિયન-પ્રેરિત એસ્ટેટની સૌથી નોંધપાત્ર વિશેષતા હોય, ડીયોનનો માસ્ટર બેડરૂમ ગાયકના "દિવા" ફ્લેરનું સાચું નિરૂપણ છે. સમૃદ્ધ બ્રાઉન રાચરચીલું, મિરર કરેલ કેસ સામાન અને રીજન્સી-શૈલીની બેઠકો આને એકદમ ભવ્ય બનાવે છે. પલંગ અને ફ્લોરિંગ વૈભવી રુવાંટીથી ઢંકાયેલ છે, અને ફ્રેન્ચ દરવાજા પડોશી એટલાન્ટિકના આકર્ષક દૃશ્યો માટે ખુલ્લા છે. ભવ્ય રૂમમાં મોટરવાળા શૂ કેરોયુસેલ્સ, કપડાની રેક અને નીચે સમુદ્રના આકર્ષક દૃશ્યો સાથે એક અનોખું વૉક-ઇન કબાટ છે. અન્ય બેડરૂમમાં સમાન ઘેરા રંગની યોજના છે, પરંતુ સફેદ છતને બદલે, તેમાં ઊંડા રંગનું લાકડું છે. તેમાં શટર દરવાજા પણ છે જેથી કરીને તમે રાતની શાંત ઊંઘ માટે પ્રકાશને અંદર આવવા દો અથવા તેને બહાર રાખી શકો. સેલિન ડીયોન નેટ વર્થ. અહેવાલ મુજબ, સેલિન ડીયોનની એપ્રિલ સુધીમાં મિલિયનની નેટવર્થ હોવાની અપેક્ષા છે. ડીયોનની સંગીત કારકિર્દી, પ્રવાસો અને લાઇવ પર્ફોર્મન્સ તેની આવકના મુખ્ય સ્ત્રોત છે. જો કે, તેણી અન્ય ક્ષેત્રોમાંથી પણ કમાણી કરે છે, જેમાં તેણીનો અભિનય વ્યવસાય, સેલિન ડીયોન કલેક્શન, બેગ અને સહાયક વ્યવસાય અને પરફ્યુમનો સમાવેશ થાય છે. બધાએ તેણીની જબરદસ્ત નેટવર્થમાં ફાળો આપ્યો છે. સેલિન ડીયોનની નેટવર્થ મિલિયન હોવાનું કહેવાય છે. સેલિન ડીયોન કેરિયર અને બિઝનેસ એન્ડેવર્સ. સેલિન, જેના આલ્બમ્સે વિશ્વભરમાં મિલિયનથી વધુ નકલો વેચી છે, તે ઇતિહાસમાં બીજા ક્રમની સૌથી સફળ સ્ત્રી સંગીતકાર છે. તેણીએ પાંચ ગ્રેમી એવોર્ડ મેળવ્યા છે, જેમાં આલ્બમ ઓફ ધ યર અને રેકોર્ડ ઓફ ધ યરનો સમાવેશ થાય છે. ટોપ-સેલિંગ પરફોર્મર પાસે યુનિવર્સિટી લેવલ અને બર્કલી કોલેજ ઓફ મ્યુઝિક તરફથી સંગીતમાં બે માનદ ડોક્ટરેટ પણ છે. બિલબોર્ડે તેને સૌથી વધુ મહિલા કલાકારોના નંબર-વન એડલ્ટ કન્ટેમ્પરરી ગીતો માટે "ક્વીન ઓફ એડલ્ટ કન્ટેમ્પરરી" તરીકે ઓળખાવી હતી. તેણીએ યુરોપમાં મિલિયનથી વધુ આલ્બમ્સ વેચવાની તેની નોંધપાત્ર સિદ્ધિ માટે ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ફોનોગ્રાફિક ઇન્ડસ્ટ્રી તરફથી માન્યતા પ્રાપ્ત કરી. ડીયોન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની લેસ પ્રોડક્શન્સ ફીલિંગ ઇન્ક. ના માલિક પણ છે, જેનું મુખ્ય મથક લાવલ, ક્વિબેક, કેનેડામાં છે. તેણી રાષ્ટ્રીય નિકલ રેસ્ટોરન્ટ બ્રાન્ડની પણ મગજની ઉપજ છે. તેણી શ્વાર્ટઝ રેસ્ટોરન્ટ અને લે મિરાજ ગોલ્ફ ક્લબની પણ માલિકી ધરાવે છે. તેણીએ શાકિલે ઓ'નીલ, સ્ટેફી ગ્રાફ અને આન્દ્રે અગાસી સાથે સીઝર્સ પેલેસનું